જ્યારે તે બીજા વર્ગમાં હતો ત્યારે 'ગણિતમાં સૌથી વધુ સત્ય' વિષય પર તેની ઉત્સુકતા છવાઈ ગઈ. પછીથી જ્યારે તે ત્રીજા ધોરણમાં ગયો, ત્યારે તેણે ઉચ્ચ પ્રકૃતિના ગણિતની સમસ્યાઓ માટે પૂછ્યું. જ્યારે ચોથા ધોરણમાં, તે ત્રિકોણમિતિની સૌથી મુશ્કેલ સમસ્યાઓ હલ કરી શકશે. તેણે ઇવલરના પ્રમેય પ્રાપ્ત કર્યા અને તે સાબિત કર્યું. તેમણે શુદ્ધ ગણિતના કેરના સારાંશને અનુસર્યો. તેની સહાય માટે તેણે કોઈ અન્ય પુસ્તક વિના બધી સમસ્યાઓનું સમાધાન કર્યું. તેના માટે દરેક સોલ્યુશન એક વિજય હતો જેણે તેને નવા પ્રયત્નો માટે પ્રોત્સાહન આપ્યું. રામાનુજને સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ જીત્યું, સામાન્ય રીતે અંગ્રેજી તેમજ ગણિતશાસ્ત્રની નિપુણતા માટે એનાયત કરાયો. પરંતુ ગણિત પ્રત્યેની ઉત્કટતા તેના પર વધી ગઈ, તેથી તે તેની શિષ્યવૃત્તિ ગુમાવી. આ એક મોટી દુર્ઘટના હતી, જેનો તેણે કદી કલ્પના પણ નથી કર્યુ કે તેની પાસે પૈસા નથી, કમાણીનું સાધન નથી, કોઈ પુસ્તકો નથી, કોઈ પ્રભાવ નથી. બહારથી કોઈ મદદ તેની પાસે આવી ન હતી. તે હવે કોઈ ચોક્કસ યોજના વિના અ વર્ષનો હતો. તે પચૈયાપ્સાનો કોલેજ મદ્રાસ માં જોડાયો હતો, પરંતુ માંદગીના કારણે ઘરે પરત ફર્યો હતો. વર્ષ ની આસપાસ, ચાર્લ્સ ચેપ્લિન નામનો નાનો, શ્યામ પળિયાવાળો છોકરો વારંવાર લંડનના થિયેટરોમાં પાછળના પ્રવેશદ્વારની બહાર જોતો જોવા મળ્યો હતો. તે પાતળી અને ભૂખી લાગતી હતી પણ તેની વાદળી આંખો નિશ્ચિત હતી. તેને શો બિઝનેસમાં કામ મળવાની આશા હતી. તે ગાય અને નૃત્ય કરી શકતો. તેના માતાપિતા મ્યુઝિક-હોલ કલાકારો હતા અને તે થિયેટરના જીવનમાં જન્મ્યા હતા. અને, તેમનું પોતાનું બાળપણ પીડાદાયક રીતે મુશ્કેલ હતું, તેમ છતાં તે લોકોને હસવું કેવી રીતે જાણે છે. તેના પોતાના પિતાનું ખૂબ જ પીવાથી મૃત્યુ થયું હતું. અને તેની માતા ખરેખર ચાર્લ્સ અને તેના મોટા સાવકા ભાઈ સીડની સંભાળ રાખવામાં સક્ષમ ન હતી. તે હંમેશાં મગજમાં બીમાર રહેતી હતી અને તેને હોસ્પિટલમાં મોકલવી પડતી હતી. પિરામિડ્સમાં તેમની અંદર મૂકવામાં આવેલી વસ્તુઓને સાચવવા માટે એક અક્ષમ્ય શક્તિ છે. પ્રાચીન ઇજિપ્તમાં પિરામિડનો ઉપયોગ રાજાઓ અથવા રાજાના મમીને બચાવવા માટે કરવામાં આવતો હતો. એવું જાણવા મળ્યું હતું કે પિરામિડમાં ભટકતા નાના રણના પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે, પરંતુ સડો નથી. બેવિસ, એક ફ્રાન્સના વ્યક્તિએ પિરામિડના વિવિધ મોડેલોનો પ્રયોગ કર્યો તેમની અંદર ખૂબ નાશકારક ખોરાક મૂકીને. આશ્ચર્યજનક રીતે તેઓ તેમના સામાન્ય સમયગાળાની તુલનામાં સચવાયેલા છે. ચેક ઇજનેર કાર્લ ડ્રોબલે બેવિસ દ્વારા કરવામાં આવેલા પ્રયોગો વિશે વાંચ્યું અને આશ્ચર્ય થયું કે શું પિરામિડ ધાતુઓના કાટ પર સમાન અસર કરશે? તેણે મોડેલ પિરામિડ હેઠળ કેટલાક નિખાલસ બ્લેડ છોડી દીધા હતા અને ખરેખર બ્લેડ વધુ તીવ્ર થઈ ગયા હતા. ડ્રબલની શોધનું પેટન્ટ કરાયું હતું. આ કેવી રીતે અને કેમ કામ કરે છે તે કોઈને ખબર નથી. રેઝર બ્લેડમાં સ્ફટિકોના સરસ સ્તરથી બનેલા ધાર હોય છે. ધાર એટલી સરસ છે કે એવું માનવામાં આવે છે કે મૂનલાઇટનું દબાણ તેમને છીનવી શકે છે અને બ્લેડને શારપન કરી શકે છે. પિરામિડનો આકાર હોઈ શકે છે